જેથી જ્યારે આપણે કહીએ કે આપણે જીવન અને સ્વતંત્રતાને મહત્ત્વ આપીએ, અમે આ લોકોને જોશું જેમણે અકલ્પનીય જોખમો લીધા છે નિકટવર્તી ભય અને નુકસાન થી ભાગવા માટે સલામતી શોધવાનો પ્રયત્ન માટે. તેઓ જ્યાં હશે ત્યાં તેમને મળીએ અને ખોરાક, પાણી, આશ્રય, કપડાં આપીએ. અને અમે ચોક્કસપણે તેમની તબીબી સંભાળ આપીશું અને માનસિક આરોગ્ય સંભાળ જેની તેઓને આની સખત જરૂર છે. જ્યારે આપણે કહીએ છીએ કે કાયદાના શાસનને મહત્વ આપીએ, અને માત્ર વિશેષાધિકારો જ નહીં તે થોડું આપે છે પરંતુ જવાબદારીઓ તે આપણા બધાની જરૂર છે, અમે ખાતરી કરીશું કે અમારી પાસે કાર્યકારી ઇમિગ્રેશન સિસ્ટમ હોય. ખાતરી કરીએ આપડી પાસે પ્રશિક્ષિત ન્યાયાધીશો છે અમે ખાતરી કરીશું કે આપડે કાયદા અને હુકમ ના ભ્રમ માં નથી આવતા કે કદાચ એક ઊંચી દિવાલ અથવા લશ્કરીકૃત સરહદ અમને પ્રદાન કરી શકે. આપણને વાસ્તવિક વસ્તુ જોઈએ છે. તે સરહદ પેટ્રોલીંગ એજન્ટ ના શિક્ષણ સાથે શરૂ થઈ શકે અથવા ઇમિગ્રેશન અધિકારીઓ, પરંતુ તેને વધુ તબીબી જરૂર છે, માનસિક આરોગ્ય અને બાળ કલ્યાણ નિષ્ણાતો ની સમગ્ર સિસ્ટમ તરફ. અને જ્યારે આપણે કહીએ છીએ કે આપણે ન્યાયની કદર કરીએ છીએ, આપડે પોતાને ત્રાસ આપનાર માં નહીં ફેરવીએ જેમનાથી આ બાળકો અને અન્ય ઘણા લોકો નાસી ગયા હતા. અમે અમારી અટકાયત કેન્દ્રો અને અમારી અદાલતો ખોલીશુ નિષ્ણાતો અને હિમાયતીઓને પોતાને જવાબદાર રાખવા. અને આપણને જરૂર છે તેમાંના મોટાભાગનાને બંધ કરવા ની અને આ શિબિરો બંધ કરવાની. હું માનું છું કે અસરકારક ભાગીદારીમાં કામ કરીને વકીલો, ડોકટરો સાથે, માનવ અધિકારના હિમાયતીઓ સાથે અને બીજા ઘણા સાથે, કે આપણે સાથે મળીને કામ કરીએ આશરો લેનારાઓની જરૂરિયાતો પૂરી કરવા કે આપડે આપડા ઐતિહાસિક, માનવતાવાદી અને તેમને કાનૂની જવાબદારીઓ પૂરી શકીએ. અને જ્યારે આપડે એ કરીશું, મને લાગે છે કે શક્તિશાળી કંઈક પ્રગટશે. માત્ર આ આશરો લેનારા જ નહીં મારા ક્લિનિકમાં આવેલા માણસની જેમ અને તેનો આશ્રયનો કેસ જીત્યો, અભ્યાસમાં બાળકોની જેમ અથવા અન્ય ઘણા હજારો જે નવું જીવન શોધે છે, તેઓ તે સલામતી અને સલામતી શોધી શકશે. અમે જે દુરુપયોગ થયો છે એ ઓળખીશું, અને અમે અધિકાર અને સંરક્ષણો જે ખોવાઈ ગયા હતા પુન:સ્થાપિત કરીશું. અને મને લાગે છે કે આપણને આશ્ચર્ય થશે જ્યારે આપણે તેમને તેમની માનવતાની પૂર્ણતામાં જોઈશું. માત્ર તેમની શક્તિ અને નબળાઇઓ જ નહીં, તેમની આશાઓ અને આનંદ, અમે સ્વીકાર્યું તે આઘાત જ નહીં, પરંતુ અમે પણ તેમની સાથે ઉભા રહીશું અને અમે તેમના સ્થિતિસ્થાપકતા દ્વારા પ્રેરિત થઈશું. તેઓ ખિલશે, અને તેઓ આ રાષ્ટ્રની